રાજમાતાએ તેને તરત જ ઓળખી લીધો હતો પણ તે જાણવાં માગતાં હતાં કે એવું તે શું બન્યું કે અચાનક તેનાં માતાપિતાને મારી તેનાં દુષ્ટ કાકાના દીકરા આદિત્યરાજે તેનું રાજ છીનવી લીધું? અને આ મજબૂત બાહુબલી યુવરાજ એટલો શાંત બની રણમાં કેમ રહેતો હતો? અને અહીં મામાનાં ઘેર રાજમહેલમાં કેમ ન આવ્યો? તે રહસ્ય તે જાણવાં માગતાં હતાં. તે ભાનમાં આવે તો એકલો બોલાવી તે પૂછવા માગતાં હતાં. પોતાની પ્રિય સખી રાજકુંવરી મધુમતીને વસુંધરાએ વાત કરતાં મધુમતી ખુબ જ ખુશ થઈ ગયી અને જલ્દી પાકી ખાતરી કરીને તેને ભગવાને મલાવેલ પ્રિયતમની સેવા કરવા જણાવ્યું. વસુંધરા હવે અવિરત વીરની સેવા કરવા લાગી. રાજમાતાં અને વસુંધરાની આતુરતાનો હવે અંત આવ્યો. બે દિવસ પછી વીર પર ઝેરનો પ્રભાવ ઓછો થતાં ભાનમાં આવ્યો, અને સહુ પ્રથમ પોતાની પ્રિયતમા વસુંધરાનો આભાર માન્યો. હવે મધુમતીએ આવીને ખાતરી કરવા યોજના મુજબ વીરને ભાઈ બનાવ્યો, અને તેને બચપણમાં ચાંદીના તારવાળું પહેરણ જે પરીના ઘૂંટણ પર બાંધ્યું હતું તે બતાવીને બોલી,"ભાઈ શ્રી આપને એક યુવતી આવીને આ કોઈ કપડાનો ટુકડો ભેટ આપી ગઈ છે? આ ટુકડાનું ક્યુ રહસ્ય છે તે આપ જાણો છો.?" કપડાનો ટુકડો ખુબ ધારીને અશક્ત બનેલ વીર જોતો હતો અને વસુંધરા યોજના મુજબ છુપાઈને તેની પ્રતિક્રિયા જોઈ રહી હતી. વીર તો આ જોતાં જ વિહવળ બની ગયો, તેની આંખો ખુશીથી ચમકવવાં લાગી. તે સફાળો ઉત્સાહમાં ઊભો થઈ ગયો અને બોલ્યો,"ભગવાને પરીને મોકલી." પણ એટલું બોલે ત્યાં જ અશક્તિનાં કારણે ચક્કર આવતાં લથડ્યો અને તે જમીન પર પડે તે પહેલાં જ છુપાયેલ વસુંધરાએ આવીને નીચે તેનું માથું ખોળામાં લઈ લીધું. વીર અર્ધબેભાન અવસ્થામાં પણ બબડતો હતો,"પરી, ઓ મારી પરી, ક્યાં ગઈ તું?" બસ ખાતરી થઈ ચુકી હતી. પરીએ તેનાં બાળપણનાં રાજાનું માથું ખોળામાં લઇને ભરપૂર વ્હાલથી ચૂમી લીધું. હવે મધુમતી પણ મધુર હાસ્ય થકી શુભકામનાં આપી બે વિખુટા પડેલ પ્રેમીઓને એકાંત આપવા કક્ષમાંથી બહાર નીકળી ગયાં. પોતાની સખીને મનનો માણીગર મળતાં તે ખુબ પ્રસન્ન હતાં. વીર ભાનમાં આવતાં વસુંધરા બોલી,"રાજાજી, પરી તો તમારાં કહ્યાં મુજબ ભગવાન મળાવે તેની રાહ જોતી હતી. લો આવી ગઈ તમારી પાસે. "પીવા નથી પાણી, આંખોમાં નીર તો ભરપૂર છે. બસ કર હવે પાગલ, તું ક્યાં હવે મુજથી દુર છે." બે બાળપણનાં મિત્રો વિરહ સહન કરી ભરપૂર પ્રેમ થકી આજ ભરપૂર પ્રેમ છલકાવી એક બીજાને ભેટીને વહાલ કરતાં એકબીજાનો ચેહરો નીરખીને જોતાં હતાં. વ્હાલની હેલી ચડી હતી. શરમની બધીય મર્યાદા છૂટી રહી